ફિફટિનમી જાન્યુઆરી સુધી આ અઠવાડિયામાં એક આખું શહેર ઉભરી આવે છે. એક શહેર જેમાં સાત મિલિયન લોકો રહે છે. આકર્ષક છે આ શહેર. ખરેખર બધી લાક્ષણિકતાઓ છે વાસ્તવિક મેગાસિટીની. શહેરને બહાર કાઢવા માટે ગ્રીડ કાર્ય શરત છે. શહેરી સિસ્ટમ ગ્રીડ છે અને આ શહેરની દરેક ગલી પોન્ટૂન પુલ પર નદીની આજુબાજુ જાય છે. આશ્ચર્યજનક સ્થિતિસ્થાપક કારણ કે જો ત્યાં કોઈ વાતાવરણીય ધોધમાર વરસાદ પડે છે અથવા જો નદીનો માર્ગ બદલાય છે, શહેરી વ્યવસ્થા અકબંધ રહે છે. શહેર આ ભૂપ્રદેશમાં પોતાને સમાયોજિત કરે છે જે અસ્થિર થઈ શકે છે. તે શારીરિકના તમામ પ્રકારોની નકલ કરે છે તેમજ સામાજિક, માળખાગત સુવિધાઓ. પાણી પુરવઠો, ગટર, વીજળી, ત્યાં વન થૉઉસન્ડ ફોર હન્ડ્રેડ સીસીટીવી કેમેરા છે જેનો ઉપયોગ સુરક્ષા માટે થાય છે સેટ કરેલ આખા સ્ટેશન દ્વારા. પણ સામાજિક માળખાકીય સુવિધાઓ, ક્લિનિક્સ, હોસ્પિટલો જેવા તમામ પ્રકારની સમુદાય સેવાઓ કે આ કાર્ય કરે છે જેમ કે કોઈ વાસ્તવિક મેગાસિટી કરશે. તેમાં શાસન વ્યવસ્થા છે, એક મેળો અધિકારી, અથવા તહેવારના કમિશનર. તે સુનિશ્ચિત કરે છે કે જમીન ફાળવવામાં આવી છે. આ બધા માટે સિસ્ટમો છે. તમે જાણો છો તે સૌથી સ્વચ્છ હતું અને સૌથી કાર્યક્ષમ ભારતીય શહેર અને આ કોઈ અનૌપચારિક શહેર નથી અથવા પ-અપ સિટી. આ શહેર છે. આ એક રાજ્ય એન્ટરપ્રાઇઝ છે. સરકાર આ સુયોજિત કરે છે. આજની દુનિયામાં નિયોલિબેરલિઝમ અને મૂડીવાદનો જ્યાં રાજ્ય પોતાનું વિકસ્યું છે સંપૂર્ણ જવાબદારી શહેરો બનાવવા અને ડિઝાઇન કરવાથી, આ એક અલ્પનીય કેસ છે. તે જાણી જોઈને છે ઇરાદાપૂર્વકનું શહેર. અને તે એક એવું શહેર છે જે બેસે છે ખૂબ થોડું જમીન પર. તે આ નદીઓના કાંઠે બેસે છે અને તે ખૂબ જ ઓછી નિશાન છોડે છે. ત્યાં કોઈ પાયો નથી. આખા શહેરને બનાવવા માટે ફેબ્રિકનો ઉપયોગ થાય છે. શું પણ તદ્દન અતુલ્ય છે તે છે કે ત્યાં પાંચ સામગ્રી છે જેનો ઉપયોગ આ પતાવટ બનાવવા માટે થાય છે સાત મિલિયન લોકો માટે આઠ ફૂટ વાંસ, શબ્દમાળા અથવા દોરડું, નખ અથવા સ્ક્રૂ અને એક ચામડીની સામગ્રી. અને આ સામગ્રી એક સાથે આવો અને એકંદર. તે ભાગોની ફીટ જેવું છે. અને તેનો ઉપયોગ બધી રીતે થાય છે નાના તંબુમાંથી જે હોઈ શકે છે પાંચ કે છ લોકો, અથવા એક કુટુંબ.